જેમાંથી સેવન ઇન્ડિયન ક્રિકેટરોએ એકથી વધુ વખત સદી ફટકારી છે. આઈસીસી વન ડે વર્લ્ડ કપ ફાઈવ ઓક્ટોબરથી શરુ થશે: આઈસીસી વન ડે વર્લ્ડ કપ ટૂ થાઉસન્ડ ટ્વેન્ટી થ્રીને શરૂ થવામાં લગભગ ત્રણ મહિનાનો સમય બાકી છે. દર વખતની જેમ આ વખતે પણ આ ટૂર્નામેન્ટ જૂના રેકોર્ડ તૂટશે અને નવા રેકોર્ડ સર્જાશે. જોકે અહીં આપણે એ રેકોર્ડ વિશે વાત કરીશું જે પહેલા જ બની ચુક્યા છે. વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ફોર્ટીન ભારતીયોએ સદી ફટકારી છે. જેમાંથી સેવન ભારતીય ક્રિકેટરોએ એકથી વધુ વખત સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે આ તમામ સાતેય ક્રિકેટરોએ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ સંભાળી ચુક્યા છે. તેમના વર્લ્ડ કપના આંકડા પર એક નજર નાખો. સચિન તેંડુલકરે પોતાની કારકિર્દી દરમિયાન વન-ડે વર્લ્ડ કપમાં ફોર્ટી ફાઈવ મેચો રમી છે. જેમાં સિક્સ સદી અને ફિફટિન અડધી સદી સામેલ છે. સચિનનો બેસ્ટ સ્કોર વન હન્ડ્રેડ ફિફ્ટી ટુ રન છે. વર્લ્ડ કપમાં ટુ વખત શૂન્ય ઉપર પણ આઉટ થયા હતા. જ્યારે ફોર વખત અણનમ રહ્યા છે. રોહિત શર્મા વન-ડે વર્લ્ડકપમાં અત્યાર સુધી સેવેનટીન મેચ રમી ચૂક્યો છે. જેમાં સિક્સ સદી અને થ્રી અડધી સદી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર વન હન્ડ્રેડ ફોર્ટી રન છે. વર્લ્ડ કપમાં તે એક વખત શૂન્ય પર આઉટ થયો છે. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-ટ્વેન્ટી સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ? જેમાં ફોર સદી અને થ્રી અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર વન હન્ડ્રેડ એઈટી થ્રી રન છે. વર્લ્ડ કપમાં તે એક વખત શૂન્ય પર આઉટ થયો છે જ્યારે ત્રણ વખત અણનમ રહ્યો છે. જેમાં થ્રી સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો બેસ્ટ સ્કોર વન હન્ડ્રેડ થર્ટી સેવન રન છે. ખાસ વાત એ છે કે તે વર્લ્ડ કપમાં એક પણ વખત શૂન્ય પર આઉટ થયો નથી અને અણનમ પણ રહ્યો નથી. રાહુલ દ્રવિડ પોતાની કારકિર્દી દરમિયાન વન-ડે વર્લ્ડકપમાં ટ્વેન્ટી ટૂ મેચ રમ્યો છે. જેમાં ટૂ સદી અને સિક્સ અડધી સદી સામેલ છે. તેનો બેસ્ટ સ્કોર વન હન્ડ્રેડ ફોર્ટી ફાઈવ રન છે. ખાસ વાત એ છે કે તે વર્લ્ડ કપમાં એક પણ વખત શૂન્ય પર આઉટ થયો નથી. સાત વખત અણનમ પેવેલિયન પરત ફર્યો છે. વિરાટ કોહલી વન-ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ટ્વેન્ટી સિક્સ મેચ રમ્યો છે.